અને મારા માટે, પ્રયત્ન કરવા અને શોધવા એ આશ્ચર્યનો પ્રકાર છે, પણ એક પ્રકારની નિરર્થકતા તે ખૂબ જ નાજુક અનુસરણમાં છે, મારી આર્ટ વર્કનો એક ભાગ છે. તેથી જે મને આસપાસ લાગે તે સામગ્રી સાથે લઈ આવુ છું. હું પ્રયાસ કરવા અને અનુભવો બનાવવા તેમને ભેગા કરુ ઓરડાઓ અનુભવે છે જે ઓરડાઓ પર કબજો કરે છે, કે દિવાલો,જમીન, ઇમારતો કબજે કરે છે ,પરંતુ આખરે હું ઇચ્છું છું કે તેઓ સ્મૃતિ પર કબજો કરે અને મેં કામ કર્યા પછી, મને લાગે છે કે ત્યાં સામાન્ય રીતે એક મેમરી હોય તે કામ જે મારા માથામાં બળે છે અને આ મારા માટે યાદશક્તિ છે તે આ અચાનક આશ્ચર્યજનક અનુભવનો પ્રકાર હતો. કલા કે કામ અંદર ડૂબી રહી. અને તે મારી સાથે રહ્યો અને મારા કામમાં એક પ્રકારનો પુનર્વસન લગભગ દસ વર્ષ પછી. મારે સ્નાતકશાળા સ્ટુડિયો પાછા જવાનુ છે કેટલીકવાર મને લાગે છે કે રસપ્રદ છે જ્યારે તમે કોઈ મુખ્ય કાર્ય શરૂ કરો છો, તમારે ફક્ત સંપૂર્ણ રીતે કરવાની જરૂર છે પ્લેટ સાફ કરો, બધું દૂર લઈ જાઓ. અને આ દેખાશે નહીં જેવા પ્લેટ સાફ કરવું, પરંતુ મારા માટે, તે હતું કારણ કે મેં પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો હતો લગભગ દસ વર્ષ માટે, જ્યારે હું સ્નાતકશાળા શાળામા ગયો મને સમજાયું કે મેં કુશળતા વિકસાવી છે, પરંતુ એ મારો કોઈ વિષય નહોતો. તે રમતવીર કુશળતા જેવું હતું, કારણ કે હું આકૃતિને ઝડપથી રંગી શકું, પણ મને કેમ ખબર નહોતી. હું તેને સારી રીતે રંગી શકુ પણ સામગ્રી નથી મેં બધા રંગ થોડા સમય એક બાજુ મૂકી દીધા અને આ પ્રશ્ન પૂછવા માટે, જે હતો કે "કેમ અને કેવી રીતે હેતુ છે અમારા માટે મૂલ્ય પ્રાપ્ત કરવાનો? " મને ખબર છે કે શર્ટ કેવી રીતે કરે છે હજારો લોકો પહેરે છે, આ શટૅ જેવું જ છે તે કેવી રીતે લાગે કે તે મારા જેવું છે? તેથી મેં તે પ્રયોગથી શરૂઆત કરી મેં સામગ્રી એકત્રિત કરીને નિર્ણય કર્યો જે તેમની પાસે ચોક્કસ ગુણવત્તા ધરાવે છે. હું નેવુના દાયકામાં સ્નાતક શાળામાં હતી અને મારો સ્ટુડિયો ફક્ત વધુ અને વધુ છબીઓથી ભરેલો બન્યો, મારા જીવનની જેમ. તેથી મેં કેટલાક પ્રયોગો સાથે છબીઓ દ્વારા શરૂઆત કરી અને જો તમે ના દાયકા તરફ નજર નાખો, કે જ્યારે પ્રથમ ચલચિત્ર છે ફિલ્મમાં ફેરવવા લાગ્યા અને તે પ્રાણીઓના અભ્યાસ દ્વારા કરવામાં આવ્યા હતા પ્રાણીઓની હિલચાલ. યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘોડાઓ, ફ્રાન્સમાં પક્ષીઓ. તેઓ આ ચળવળઅભ્યાસ માં હતા તે પછી ધીમે ધીમે